અમરનાથ ગુફાના ઊંચાઈવાળા વિસ્તાર સહિત જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં ગુરુવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારથી આ વિસ્તારમાં હવામાનમાં સુધારો થવાની શક્યતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સતત વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર કાટમાળ સાફ કરવાનું કામ ખોરંભે પડ્યું છે. રસ્તો કાર્યરત થયા બાદ ફસાયેલા વાહનોને પ્રાથમિકતાના ધોરણે બહાર કાઢવામાં આવશે ટ્રાફિક વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનનો કાટમાળ સાફ કરવા અને જૂના રસ્તા પરથી પંથિયાલ ટનલ નજીક ક્ષતિગ્રસ્ત રસ્તા સુધી પહોંચીને તેનું સમારકામ કરવાની કામગીરી ચાલી રહી છે. પંથિયલમાં પર્વતીય વિસ્તારમાંથી પસાર થતા હાઈવે પર પહાડો પરથી સતત ખડકો પડવાના કારણે ટ્રાફિક રિસ્ટોરેશનનું કામ ખોરવાઈ રહ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર રસ્તો કાર્યરત થયા બાદ ફસાયેલા વાહનોને પ્રાથમિકતાના ધોરણે બહાર કાઢવામાં આવશે. મંડી જિલ્લાના ડેપ્યુટી કમિશનરે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે જિલ્લામાં ભારે વરસાદને કારણે મંડીની તમામ શાળા-કોલેજો આવતીકાલે બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં બાંધવામાં આવેલી પાંથિયાલ ટનલ નજીક મોટા પાયે ભૂસ્ખલન બાદ એક રસ્તો ધોવાઈ ગયા બાદ રવિવારે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ રહ્યો હતો. હિમાચલ પ્રદેશમાં રવિવારે પણ ભારે વરસાદે વિનાશ કર્યો છે, જેના કારણે ભૂસ્ખલન થયું હતું અને મકાનોને નુકસાન પહોંચ્યું છે. શિમલા જિલ્લાના કોટગઢ વિસ્તારમાં ભૂસ્ખલન બાદ મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે.